ડિપોઝિટ ઇન્શ્યોરન્સ કવર અંગે સમિતિની ભલામણ, નિયમન હેઠળની સંસ્થાઓમાં ગ્રાહક સેવા ધોરણોની સમીક્ષા કરવા માટે રચાયેલી સમિતિએ ભલામણ કરી છે કે રિઝર્વ બેંકે ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (ડીઆઈસીજીસી)નું કવર વિસ્તારવાની શક્યતા તપાસવી જોઈએ. હાલમાં આ કવર માત્ર બેંક થાપણો માટે ઉપલબ્ધ છે. જો સમિતિની ભલામણ સ્વીકારવામાં આવે, તો પ્રીપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (પીપીઆઈ) ધારકો માટે તે મોટી રાહત બની શકે છે. પ્રીપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ શું છે? પીપીઆઈ એવું સાધન છે, જેનો ઉપયોગ માલસામાન અને સેવાઓની ખરીદી, નાણાકીય સેવાઓ મેળવવા અને તેમાં રહેલા નાણાં સામે રેમિટન્સની સુવિધા માટે કરી શકાય છે. તે કાર્ડ અથવા વૉલેટના સ્વરૂપમાં ઇશ્યૂ થઈ શકે છે. પીપીઆઈ મુખ્યત્વે બે પ્રકારના હોય છે, સ્મોલ પીપીઆઈ અને ફુલ-કેવાયસી પીપીઆઈ. સ્મોલ પીપીઆઈને પણ વિવિધ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. તેમાં બેંક ખાતામાંથી ડેબિટ અથવા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા કેશ લોડ અથવા રીલોડ જેવી સુવિધાઓનો સામનો સમાવેશ થાય છે. કેશ લોડિંગ પર નિયમો મુજબ માસિક કુલ મર્યાદા લાગુ પડે છે. પીપીઆઈ કોણ ઇશ્યૂ કરી શકે? રિઝર્વ બેંકની મંજૂરી મેળવ્યા પછી બેંકો અને નોન-બેંક સંસ્થાઓ પીપીઆઈ ઇશ્યૂ કરી શકે છે. નવ નવેમ્બર સુધીમાં એરટેલ પેમેન્ટ્સ બેંક, એક્સિસ બેંક, બેંક ઑફ બરોડા, જિયો પેમેન્ટ્સ બેંક, કોટક મહિન્દ્રા બેંક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, યુકો બેંક અને યુનિયન બેંક સહિત અઠાવન થી વધુ બેંકોને પીપીઆઈ ઇશ્યૂ કરવા અને તેનું સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્રીસ મે સુધીમાં તેત્રીસ નોન-બેંક ઇશ્યુઅર્સને પણ મંજૂરી આપવામાં આવી હતી. તેમાં એમેઝોન પે, બજાજ ફાઇનાન્સ, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ, મન્નાપુરમ ફાઇનાન્સ લિમિટેડ, ઓલા ફાઇનાન્સિયલ સર્વિસિસ અને રેઝરપે ટેક્નોલોજીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. સમિતિએ શું ભલામણ કરી? રિઝર્વ બેંક દ્વારા રચાયેલી સમિતિએ જણાવ્યું હતું કે આરબીઆઈએ દેશમાંપીપીઆઈ ઇશ્યૂ કરવા માટે અનેક બેંકો અને નોન-બેંક સંસ્થાઓને મંજૂરી આપી છે. વૉલેટમાં રાખવામાં આવેલા નાણાં થાપણના સ્વરૂપમાં હોય છે. જોકે, હાલમાં ડીઆઈસીજીસી માત્ર બેંકોમાં રહેલી થાપણો પર જ વીમા કવર આપે છે. રિઝર્વ બેંક દ્વારા નિયમન કરવામાં આવતા પીપીઆઈ ઇશ્યુઅર્સ પાસે પણ ગ્રાહકોના નાણાં હોય છે. તેથી આ ક્ષેત્રમાં ડિપોઝિટ ઇન્શ્યોરન્સ કવર વિસ્તારવાની શક્યતા તપાસવાની જરૂર છે, એવી સમિતિએ ભલામણ કરી હતી. સમિતિએ સૂચવ્યું હતું કે રિઝર્વ બેંક તપાસી શકે કે ડીઆઈસીજીસીનું કવર પહેલા બેંક દ્વારા ઇશ્યૂ કરવામાં આવતા પીપીઆઈ અને ત્યારબાદ નોન-બેંક ઇશ્યુઅર્સ સુધી વિસ્તારી શકાય કે નહીં. ડીઆઈસીજીસી શું છે? ડીઆઈસીજીસી રિઝર્વ બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે, જે બેંકોમાં રહેલી થાપણો પર વીમા સુરક્ષા આપે છે. ડિપોઝિટ ઇન્શ્યોરન્સ સિસ્ટમ નાણાકીય વ્યવસ્થાની સ્થિરતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને બેંક નિષ્ફળ જાય ત્યારે નાના થાપણદારોની થાપણોનું રક્ષણ કરવામાં તે મદદરૂપ થાય છે. ડીઆઈસીજીસી દ્વારા આરબીઆઈ દ્વારા લાઇસન્સ પ્રાપ્ત સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંકો, લોકલ એરિયા બેંકો, પેમેન્ટ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો, રિજનલ રૂરલ બેંકો અને સહકારી બેંકો સહિતની વીમાપાત્ર બેંક થાપણોને વીમા સુરક્ષા આપવામાં આવે છે.